તે કોઈ પણ વસ્તુને સૌથી ફાસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરે છે? તેના વિશે જાણકારી જાણીશું. ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર શું છે? ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર કેવી રીતે કામ કરે છે? ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર એક સોફ્ટવેર અથવા ટૂલ છે જેને તમે પોતાના કમ્પ્યુટરના વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ડાઉનલોડ કરીને અને પોતાના બ્રાઉઝરમાં તેનું એક્સટેન્શન ઇન્સ્ટોલ કરીને તમે ઇન્ટરનેટ પરથી કોઈ પણ વિડિયો, ઓડિઓ કે ફાઇલ પાંચ ગણી વધારે સ્પીડથી ડાઉનલોડ કરી શકો છો. પણ અહી આ ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર સામાન્ય કરતાં તમને વધારે ડાઉનલોડ સ્પીડમાં કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરીને આપે છે. આ ટૂલમાં તમને ડાઉનલોડીંગ કરવા માટે ઘણા બધા ફીચર્સ મળે છે જેનાથી વેબમાથી તમારે કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરવી સરળ થઈ જાય છે. ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર કેવી રીતે કામ કરે છે? જ્યારે તમે ઇન્ટરનેટ પરથી કોઈ મોટી ફાઇલને ડાઉનલોડ કરો છો તો તમારી ફાઇલને ટુકડામાં વહેચી દે છે અને પછી તેને એક સાથે ડાઉનલોડ કરે છે. ઉપર તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે જ્યારે કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરે છે તો તેને અલગ-અલગ ટુકડાઓમાં વહેંચીને એક સાથે તે ટુકડાઓને ડાઉનલોડ કરે છે અને જ્યારે તે ફાઇલના ટુકડા ડાઉનલોડ થઈ જાય તો તેને પાછળથી એક પૂરી ફાઇલમાં કન્વર્ટ કરી દે છે જેથી આપણે તે ફાઇલનો ઉપયોગ કરી શકીએ છે. પ્રોસેસર એટલે શું? પ્રોસેસર વિશે જાણકારી. કમ્પ્યુટરને તમે કોઈ પણ કાર્ય આપો તો કમ્પ્યુટર તમને તે કામ પુરુ કરીને આપે છે અને તે કામ કેટલું ઝડપી પૂરું થશે તે તેના ઘણા ભાગો પણ આધારિત હોય છે પણ તેમાં સૌથી મુખ્ય આધારની વાત કરીએ તો તેનું નામ છે પ્રોસેસર, જેને તમે "સેટ્રલ પ્રોસેસિંગ યુનિટ" પણ કહી શકો છો પણ ટૂંકમાં તેને આપણે પ્રોસેસર કહીએ છીએ. પ્રોસેસરનો ઉપયોગ મોબાઇલ, કમ્પ્યુટર અને લેપટોપ જેવા ઘણા ઉપકરણમાં થાય છે અને પ્રોસેસરના નામ પરથી જ આપણને તેનો થોડો અર્થ સમજાઈ જાય છે, જેમ કે પ્રોસેસ કરવું. તમે તમારા કમ્પ્યુટર કે મોબાઇલમાં કોઈ પણ ગેમ રમો છો તો તે ગેમ કેટલી સ્મૂધ ચાલશે તે તેના પ્રોસેસર પર આધારિત હોય છે, પ્રોસેસર જેટલું શક્તિશાળી હશે તેટલું તમારા ડિવાઇસમાં તે ગેમ સરળ રીતે ચાલશે.